અહીં જાણો કેટલીક એવી ટ્રિક્સ વિશે જે તમારા ફોનના સ્ટોરેજને ખાલી કરી દેશે અને સંપૂર્ણ જગ્યા બનાવી દેશે. વન માં સ્ટોરેજ કેવી રીતે વધારવો તમારો ડેટા સાફ કરો આઇક્લાઉડ બેકઅપ ચાલુ કરો તમારી મેઇલ એપ્લિકેશન સાફ કરવી તમે ઉપયોગ કરતા નથી તે એપ્સને ઓફલોડ કરો સફારી બ્રાઉઝરમાંથી ડેટા સાફ કરો મેસેજ કાઢી નાખો. સ્ટોરેજ કેવી રીતે વધારવોના આ ટેન ફીચર્સ ફોનનો ઉપયોગ સરળ બનાવશે તમારો ડેટા સાફ કરો. જો તમે શાળાથી કોલેજ સુધી, માતા-પિતાથી લઈને સંબંધીઓ સુધી પર બહુવિધ જૂથોનો ભાગ છો, તો સંભવ છે કે તમારી પાસે ઘણા બધા ન વાંચેલા વીડિયો હશે જે તમારા ફોનની જગ્યા લઈ રહ્યા છે. ઘણા વપરાશકર્તાઓ માટે તમારી જગ્યા સાફ કરવી એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ માટે, સેટિંગ્સમાં જાઓ અને પર ટેપ કરો, જેથી તમે જોઈ શકો કે તેણે કેટલો ડેટા લીધો છે. જો તે બે અંકોમાં હોય તો આશ્ચર્ય પામશો નહીં, ખાસ કરીને જો તમે ઘણા સક્રિય જૂથોનો ભાગ હોવ. તે પછી સેટિંગ્સ, સ્ટોરેજ અને ડેટા પર જાઓ અને સ્ટોરેજ મેનેજ કરો. વોટ્સએપ ભરેલી બધી જગ્યા બતાવશે. જમણી બાજુએ તમે 'સમીક્ષા કરો અને દૂર કરો' જોશો. આમાં ફાઈવ કરતાં મોટી ફાઇલોનો સમાવેશ થાય છે. ફક્ત તેમાંથી મોટાભાગનાને દૂર કરો અને તે કદાચ વિડિઓઝ હશે. પર બ્લુ ટિક કેવી રીતે દૂર કરવી? પછી તમે દરેક ચેટ જોઈ શકો છો કે તે તમારા ફોન પર કેટલી જગ્યા લઈ રહી છે. દરેક ચેટ પર ટેપ કરવાથી તમને કદાચ ડિલીટ કરવાની જરૂર હોય તેવી બધી આઇટમ દેખાશે. યાદ રાખો કે તે માત્ર વિડિયો અથવા ચિત્રો જ નથી જે જગ્યા લે છે, ઘણી પીડીએફ ફાઇલો પણ તે જ કરે છે. હવે જ્યારે તમે આમાંના કેટલાક વિડિયો, ફોટા અને ફાઇલો કાઢી નાખી છે, તો તમારે તમારા ઉપકરણ પર થોડી વધારાની જગ્યા જોવી જોઈએ. જો તમે આ બધા ફોટાને કાઢી નાખતા પહેલા બેકઅપ લેવા માંગતા હો, તો તમે તે પણ કરી શકો છો. ફક્ત ધ્યાનમાં રાખો કે તમે ચેટ બેકઅપમાં 'વિડીયો ઉમેરો' વિકલ્પ ચાલુ કર્યો છે. આઇક્લાઉડ બેકઅપ ચાલુ કરો. જો તમારી પાસે પહેલાથી નથી, તો કેટલીક વધારાની ઓનલાઈન સ્ટોરેજ સ્પેસ ખરીદવી અને ક્લાઉડ પર ફોટા અને વીડિયોનું બેકઅપ લેવાનું શરૂ કરવું શ્રેષ્ઠ છે. સેવા અને સ્ટોરેજની ઍક્સેસ સાથે આવે છે. મૂળભૂત વ્યક્તિગત પ્લાનની કિંમત દર મહિને રૂ. ફેમિલી પ્લાનની કિંમત દર મહિને રૂ. છે અને તે તમને ફાઈવ જેટલા અન્ય લોકો સાથે સ્ટોરેજ શેર કરવા દે